નેહુલ ઠકકર મુખ્યમંત્રો મોકળો મને મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ રાજ્યભરના ગૌસેવક પાંજરાપોળ સંચાલકો સાથે ગાંધીનગરમાં મોકળા મને સંવાદ કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાતે જીવદયાના સંસ્કાર સાથે તમામ આત્માને અભયદાન આપનારૂં અહિંસક રાજ્ય તરીકે મોડેલ સ્ટેટ બનાવવું છે કચ્છમાં ભુજ અને અન્ય સ્થળોએ વિશ્વકર્મા જયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમ યોજાશે નિગમને વિજેતા ટ્રોફી તેમજ રૂ ટી ને સૌથી ઓછા અકસ્માત દર બદલ બે હજાર અઢાર ઓગણિસ નો રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર રોડ સેફ્ટી એવાર્ડ જેવુ રાષ્ટ્રીય સન્માન ભારત સરકાર તરફ થી અપાયું છે એક લાખ કિલોમીટર જેટલો પ્રવાસ બસ કરે ત્યારે અકસ્માત નો દર માત્ર શૂન્ય પોઈન્ટ છ ટકા જેટલો નીજીવો રહેવા બદલ આ બહુમાન અપાયું છે વિશ્વકર્માને સ્થાપત્ય શાસ્ત્રના દેવ તરીકે માનવામાં આવે છે તેમણે બી તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ વર્ષ બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ તેને સાકાર કરવા માટે ખેતીવાડી સાથે પશુપાલન અને ડેરી ઉદ્યોગ ને જોડવા પડશે કારણ કે આ બંને એકબીજાના પૂરક વ્યવસાય છે આ સાતમી કડીમાં કચ્છ બનાસકાંઠા દાહોદ સહિતના દૂરસુદુરના જિલ્લાઓના ગૌસેવકોપાંજરાપોળ પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી ગાયો સહિત પશુઓના રખરખાવ ઘાસચારાની સ્થિતી અછતના સમયે રાજ્ય સરકારે દાખવેલી સંવેદના અંગે પોતાના પ્રતિભાવો મુખ્યમંત્રીશ્રી સમક્ષ ખૂલ્લા દિલે વ્યકત કર્યા હતા બે લાખનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા શ્રી વિજયભાઇ રૂપાણીએ આ સાતમી કડીમાં સમગ્ર રાજ્યમાંથી ગૌસેવકો પાંજરાપોળ સંચાલકો જીવદયા ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે ફળદાયી સંવાદગોષ્ઠિ કરી હતી જિલ્લા આરોગ્ય અધિકારી પ્રમકુમાર કન્નરે જણાવ્યું હતું કે ચીનથી આવેલા ઓગણિસ લોકો અને કંડલા બંદરે આવેલા ત્રણ ક્રુ મેમ્બરો સહિત તેત્રીસ લોકોમાં સંપણ આરોગ્યની તપાસ કરવામાં આવી હતી જો કે કોઈ ગંભીર બિમારી જણાઈ ન હતી આજે મોઢે શ્વરી માતાજીના પ્રાગટયોત્સવનો પણ વિવિધ કાર્યકમો સાથે ઉજવણી કરવામાં આવશે નિગમને આ ગૌરવ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે ગૌઆધારિત પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય હોવાનું કહેતા તેમણે ગાંધીનગર ખાતે મધુર ડેરીની સુવર્ણ જયંતીનો શુભારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રીએ સમાજના વિવિધ વર્ગો તબક્કાઓને પોતાના નિવાસસ્થાને સામે ચાલીને આમંત્રીને તેમના પ્રશ્નોસમસ્યાઓ ફિડબેક મેળવવા શરૂ કરેલા જનસંવાદ પ્રયોગ મોકળા મનેની ગઈકાલે સાતમી કડી યોજાઇ હતી નહલ ઠકકર રાજયપાલ રાજ્યપાલ આચાર્ય દેવવંતે કહ્યું છે કે ખેડૂતોની આવક બમણી કરવા માટે પશુપાલન સૌથી મહત્વનું સદ્યોગી ક્ષેત્ર છે નહલ ઠકકર કચ્છ કોરોના વાયરસ કોરોના વાઈરસની અસરને પગલે જિલ્લાના ખાસ કરીને કંડલા અને મુન્દ્રા બદરે આવતા ક્રમે બરોમાં કોઈ જાતની બિમારી નથી ને તે બાબતે જિલ્લા આરોગ્ય તંત્ર દવારા આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે જિલ્લા આરોગ્ય તંત્ર કોરોના વાયરસને પગલે સતર્કતા દાખવી રહયું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એસ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી છે આ પ્રસંગે લુણાવાડા એસ પટેલ લાયન્સ ક્લબના હોદ્દેદારો એસ ના બસ ડ્રાયવર તેમજ કંન્ડક્ટરને બસમાં મુસાફરી કરતા મુસાફરોની સલામતી માટે શપથ લેવડાવ્યા હતા ગુજરાતના સ્થાપના દિવસની ગુજરાત સહિતના સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓને શુભેચ્છા પાઠવી હતી નિગમના કર્મચારીઓ તેમજ મુસાફરો ઉપસ્થિત રહ્યાં હતા।